તેથી જો તમે આ વિશે વિચારો છો તે એક પ્રકારનો શોર્ટકટ જેવો છે. તેઓ લિંગનો ઉપયોગ શોર્ટકટ તરીકે કરી રહ્યાં છે, તેમના લક્ષ્ય ગ્રાહક મેળવવા માટે. મુદ્દો તે તાર્કિક છે જેમ કે દલીલ લાગે છે, એક શોર્ટકટ તરીકે લિંગ ખરેખર મહાન નથી. આ દિવસ અને યુગમાં,જો તમે હજી પણ આંધળા આંખે લિંગ દૃશ્યનો ઉપયોગ કરો છો તમારી માર્કેટિંગ પ્રવૃત્તિઓ માટે, ખરેખર તે માત્ર સાદો ખરાબ વ્યવસાય છે. હું પણ પ્રતિક્રિયા વિશે વાત નથી કરતો. જાહેરાતમાં રૂઢિપ્રયોગ પર, જે એક ખૂબ જ વાસ્તવિક વસ્તુ છે કે ધ્યાન આપવું પડશે. હું કહું છું કે તે ખરાબ વ્યવસાય છે, કારણ કે તમે ટેબલ પર પૈસા મૂકી રહ્યા છો તમારા બ્રાન્ડ અને તમારા ઉત્પાદનો માટે, કારણ કે લિંગ એ એક સરળ વસ્તુ છે. બજારમાં શોધવા માટે અને લક્ષ્ય બનાવવા અને વિશે વાત કરવા માટે તે ખરેખર તમને વિચલિત કરે છે. મનોરંજક વસ્તુઓમાંથી તે ડ્રાઇવિંગ ગ્રોથ હોઈ શકે છે, તમારા બ્રાન્ડ માંથી અને તે જ સમયે, તે બનાવવાનું ચાલુ રાખે છે .જાતિઓ આસપાસ અલગ અને રૂઢિપ્રયોગો કાયમી, તેથી તે જ સમયે આ પ્રવૃત્તિ તમારા વ્યવસાય માટે ખરાબ છે અને સમાજ માટે ખરાબ છે, તેથી ડબલ વાહિયાત છે. અમને તેની ટેવ પડી ગઈ અને અમે તેને ફરીથી ક્યારેય પડકાર્યું નહીં અને તે મને રસપ્રદ છે અને રસપ્રદ દ્વારા મારો અર્થ થોડું પાગલ કે આપણે હજી પણ સેગમેન્ટ તરીકે આ વિશે વાત કરીશું, જ્યારે તે સંભવિત કેરીઓવર પૂર્વગ્રહ છે. હકીકતમાં હું નથી આવતો આ નિષ્કર્ષ માટે થોડું સૂચવવા માટે અમારી પાસે પૂરતો ડેટા છે, તે લિંગ શ્રેષ્ઠ સ્થાન નથી. તમે ડિઝાઇન કરવા માટે શરૂ કરવા માટે અને તમારી બ્રાન્ડ્સને લક્ષ્ય બનાવો અને હું એક પગથિયું આગળ વધારીશ, સિવાય કે તમે કામ કરી રહ્યા છો ખૂબ જ લિંગ-વિશિષ્ટ ઉત્પાદન કેટેગરી, કદાચ બીજું કંઈપણ તમે પૂર્વધારણા કરી રહ્યા છો. હમણાં તમારા ગ્રાહક વિશે જાતિ કરતાં વધુ ઉપયોગી થશે. અમે દોરવા માટે ગોઠવ્યું ન હતું. આ નિષ્કર્ષ ખાસ અમને મળી સલાહકારો તરીકે, અમારી નોકરી અમારા ગ્રાહકો સાથે જવા માટે છે અને તેમના વ્યવસાયને સમજો અને તેમને જગ્યાઓ શોધવામાં મદદ કરવાનો પ્રયાસ કરો. તેમની બ્રાન્ડ વધવા માટે અને તે અમારી માન્યતા છે કે જો તમે ઇચ્છો તો બજારમાં વિક્ષેપિત વૃદ્ધિ શોધવા માટે, તમારે ઉપભોક્તા પાસે જવું પડશે અને ખૂબ જ અજ્ઞેયવાદીઓનો દૃષ્ટિકોણ જુઓ ઉપભોક્તા. તમારે જવું પડશે અને જોવું પડશે શરૂઆતથી તેમના પર પક્ષપાત અને સેગમેન્ટ્સથી પોતાને દૂર કરો કે તમે વિચાર્યા હતા મહત્વપૂર્ણ છે,